ગદર બે નું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ ઉપરાંત ગૌરવ ચોપરા, ઉત્કર્ષ શર્મા અને લવ સિન્હા જોવા મળશે. ઉત્કર્ષ શર્માએ 'ગદરઃ એક પ્રેમ કથા'માં જીતેની ભૂમિકા ભજવી હતી. પરંતુ તે સિક્વલમાં મોટો થયો છે. 'ગદર બે 'નું મોટાભાગનું શૂટિંગ લખનૌમાં થયું છે. લખનૌની લા માર્ટિનીયર કોલેજને પાકિસ્તાન આર્મીના હેડક્વાર્ટર તરીકે બતાવીને અહીં પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે 'ગદર બે' વાસ્તવમાં 'ગદર બે ' બે હજાર એક માં આવેલી ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા'ની સિક્વલ છે. જે દર્શકોનું મનોરંજન કરવા માટે આ વર્ષે ઓગસ્ટમાં સિનેમાઘરોમાં દસ્તક આપી શકે છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્વતંત્રતા દિવસના અવસર પર એટલે કે પંદર ઓગસ્ટ ના રોજ, ફિલ્મ રિલીઝ થઈ શકે છે, ત્યારબાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ઉત્તેજના છે. માઇકલ જેકસન મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ જે તમને હેરાન કરી દેશે. કિંગ ઓફ પોપ ના નામથી પ્રસિદ્ધ માઇકલ જેક્સન નું, જૂન બે હજાર નવ માં આકસ્મિક મૃત્યુથી આખી દુનિયામાં તેઓના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. માઇકલ જેકસન ની આજે પુણ્યતિથિ છે. માઇકલ જેકસન લોસ એન્જલસના પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે હૃદયરોગના હુમલાથી તેમનો જીવ ગયો હતો. માઇકલ જેકસન એકલા એવા ગાયક,ગીતકાર, તેમજ પોપ ડાન્સર હતા જેમણે રોક એન્ડ ભૂમિકાને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ માયકલ જેકસન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ માઇકલ જેકસન,તેમજ રોક સંગીત આજે આખી દુનિયામાં પ્રચલિત છે. તેમના નામે તેર ગ્રેમી એવોર્ડ, સેમી ગ્રેમી એવોર્ડ, ગ્રેમી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ છવીસ અમેરિકન મ્યુઝિક એવોર્ડ મળેલા છે. ઓગણીસો સિત્યાસીમાં બહાર પડેલા વિડિયો સ્મૂથ ક્રિમીનલ માં માઇકલ જેકસન જે ડાન્સ સ્ટેપ કર્યા હતા તે આજે પણ કરવા કોઈના હાથમાં નથી. તેવું તેઓ ખાસ પ્રકારના બુટ ની મદદથી કરતા હતા. જેનું પેટન તેમના બે સાથીઓ ના નામે છે. માઇકલ જેકસન દુનિયાને રોબોટ તેમજ મુન-વોક જેવા ખાસ ડાન્સિંગ સ્ટેપ ની ભેટ આપી હતી. એટલું જ નહીં પરંતુ હિપહોપ, પોસ્ટ ડિસ્કો,પોપ તેમજ રોક પણ શીખવ્યું હતું. માઇકલ જેક્સન ઉપર તેર વર્ષના એક છોકરા સાથે યોન ઉત્પીડનનો આરોપ હતો.